વર્ષ ઓગળીસોમાં પેરિસમાં એક પ્રદર્શનમાં એક અસાધારણ હીરો રજૂ કરવામાં આવ્યો હતો. ટાટા ગ્રૂપના સંસ્થાપક જમશેદજીના ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટા પણ આ પ્રદર્શનમાં ગયા હતા. આ હીરો દક્ષિણ આફ્રિકાની જૅગર્સફૉન્ટેઇન ખાણમાંથી એક હજાર આઠ સો પંચાણુંમાં મળી આવ્યો હતો. તેમનું કદ કોહિનૂર કરતાં પણ લગભગ બમણું હતું, અને તેની શુદ્ધતા પણ અકલ્પનીય માનવામાં આવતી હતી. વર્ષ અઢારસો છનુમાં તેને તરાશવા માટે એમ્સ્ટગર્ડમ મોકલવામાં આવ્યો હતો. હીરાનું નામ જુબલી કેવી રીતે પડ્યું? હીરા હીરો મળ્યાના બીજો વર્ષે, એટલે કે અઢારસો સત્તાનુંમાં, બ્રિટનની મહારાણી ક્વીન વિક્ટોરિયાની ડાયમંડ જુબલી હતી. તેમના સન્માનમાં આ હીરાનું નામ જુબલી રાખવામાં આવ્યું હતું. તે સમયે આ હીરાના માલિક લંડનના એક વેપારી હતા. તેઓ આ હીરો મહારાણીને ભેટમાં આપવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ની નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. વર્ષ ઓગળીસોમાં પેરિસમાં યોજાયેલા પ્રદર્શનમાં દોરાબજી ટાટાએ આ હીરો જોયો અને પોતાની પત્ની મેહેરબાઈ ટાટાને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. હરીશ ભટે પેંગ્વિન દ્વારા પ્રકાશિત પોતાના પુસ્તક ટાટા સ્ટોરીઝમાં આ લખ્યું છે કે દોરાબજીએ લંડનના એક વેપારી પાસેથી આ હીરો એક લાખ પાઉન્ડમાં ખરીદ્યો હતો. મેહેરબાઈ ટાટાએ આ હીરાને પ્લેટિનમ ચેન અને પ્લેટિનમ લોકેટ સાથેના ગળાના હારમાં જડાવ્યો હતો. જ્યારે તેઓ પારસી સાડી સાથે આ હીરો પહેરતા, ત્યારે તેની સુંદરતા જાણે બમણી થઈ જતી. દોરાબજી ટાટાએ આ હીરાનો ભારે ભરખમ વીમો પણ કરાવ્યો હતો. હીરો લંડનની એક સેફ ડિપોઝિટ વૉલ્ટમાં રાખવામાં આવયો હતો. મેહેરબાઈ જ્યારે તેને બહાર કાઢતા, ત્યારે વીમા કંપની તેની પાસેથી બસ્સો પાઉન્ડનો દંડ વસૂલતી હતી. ટાટા સ્ટીલને બચાવવા માટે હીરો ગીરવે મૂકાયો આ દરમિયાન દોરાબાજી ટાટા ટાટા ગ્રૂપના ચેરમેન બન્યા. થોડા સમય પછી કંપની ગંભીર નાણાકીય સંકટમાં ફસાઈ ગઈ. ઓગણીસો ચોવીસમાં જમશેદપુરથી એક ટેલિગ્રામ મળ્યો કે સ્ટીલ કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ નાણાં બચ્યાં નથી. બધાને લાગવા લાગ્યું કે કંપની બંધ થઈ જશે. દોરાબજી ટાટા અને તેમની પત્ની મેહેરબાઈએ નક્કી કર્યું હતું કે સ્ટીલ કંપનીને બચાવવા માટે પોતાની બધી સંપત્તિ ઈમ્પિરિયલ બેન્ક પાસે ગીરવે મૂકી દે દેવી. તેમની સંપત્તિની કિંમત આશરે એક કરોડ રૂપિયા હતી, જે તે સમય માટે ખૂબ મોટી રકમ હતી. આ રીતે, પોતાની વ્યક્તિગત સંપત્તિ અને કિંમતી જુબલી હીરાને જોખમમાં મૂકીને દોરાબજી ટાટા અને મેહેરબાઈ ટાટાએ ટાટા સ્ટીલને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.